સેબીએ જણાવ્યું હતું કે સૂચિત ધરાવતી ડિસ્ક્લોઝર આવશ્યકતાઓ ઓછા-જોખમ અને મધ્યમ-જોખમવાળા ને કોઈપણ રીતે અસર કરશે નહીં. નિયમનકારે દસ્તા પર ટિપ્પણીઓ આમંત્રિત કરી છે, વીસ જૂન સુધીનો સમય આપ્યો છે. લાઇટવેઇટ પેમેન્ટ સિસ્ટમ શું છે? રિઝર્વ બેંકે જણાવ્યું કે, લાઇટવેઇટ અને પોર્ટેબલ પેમેન્ટ સિસ્ટમ ઓછામાં ઓછા હાર્ડવેર અને સોફ્ટવેરથી સંચાલિત કરી શકાશે, જે કુદરતી આફતો અને યુદ્ધ જેવી કટોકટીની પરિસ્થિતિમાં કામ લાગશે. આ સિસ્ટમ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ ટેકનોલોજીથી સ્વતંત્ર હશે જે હાલની પેમેન્ટ સિસ્ટમ પર આધારિત છે. મધ્યસ્થ બેંકે હજુ સુધી આ પેમેન્ટ સિસ્ટમ ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કોઇ માહિતી આપી નથી. આવી લાઇટવેઇટ પેમેન્ટ સિસ્ટમની શું જરૂર છે? ત્રીસ મે, મંગળવારના રોજ વર્ષ ત્રેવીસના વાર્ષિક અહેવાલમાં એ જણાવ્યું કે, લાઇટવેઇટ અને પોર્ટેબલ પેમેન્ટ સિસ્ટમ ઓછામા ઓછા ઓછામાં ઓછા હાર્ડવેર અને સૉફ્ટવેર પર કાર્ય કરે તેવી અપેક્ષા છે અને તેને ફક્ત "જરૂરિયાતના આધારે" સક્રિય કરવામાં આવશે. જ્યારે કાઉન્ટર પર જમા કરવામાં આવી રહી હોય ત્યારે બેંકની નોટ નકલી હોવાનું જણાય તો બેંક શાખા દ્વારા ટેન્ડરને નિયત ફોર્મેટમાં એક સ્વીકૃતિ જારી કરવાની રહેશે. "આવી લાઇટ અને પ્રોબેલીટી પેમેન્ટ સિસ્ટમ દેશમાં પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમના શૂન્ય ડાઉનટાઇમની નજીકની ખાતરી કરી શકે છે અને બલ્ક પેમેન્ટ્સ, ઇન્ટરબેંક પેમેન્ટ્સ અને સહભાગી સંસ્થાઓને રોકડીની જોગવાઈઓ જેવી આવશ્યક ચુકવણી સેવાઓની અવિરત કામગીરીને સરળ બનાવીને અર્થતંત્રની લિક્વિડિટી પાઇપલાઇનને જીવંત અને અડીખમ રાખી શકે છે. સરકાર અને બજાર સંબંધિત વ્યવહારો સહિત અર્થતંત્રની સ્થિરતાની ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ ટ્રાન્ઝેક્શન કરવા સિસ્ટમ માટે પાસે અપેક્ષા છે. એ જણાવ્યું કે, "આવી સ્થિતિસ્થાપક સિસ્ટમથી પેમેન્ટની પ્રોસેસમાં બંકર સમકક્ષ તરીકે કામ કરવાની પણ સંભાવના છે અને ત્યાંથી આત્યંતિક પરિસ્થિતિઓમાં પણ ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય બજારના માળખામાં લોકોનો વિશ્વાસ વધારશે. " લાઇટ પેમેન્ટ સિસ્ટમ કેવી રીતે અલગ હશે? રિઝર્વ બેંકે કહ્યું કે, દેશમાં વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ દ્વારા ઉપયોગ કરવા માટે ઘણી પેમેન્ટ સિસ્ટમ્સ ઉપલબ્ધ છે, જેમાંથી દરેકની પોતાની ખાસિયતો અને એપ્લિકેશન છે અને જેવી હાલની પરંપરાગત પેમેન્ટ સિસ્ટમ્સ સતત ઉપલબ્ધતાની ખાતરી કરતી વખતે મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન હાથ ધરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. પરિણામે, તેઓ એડવાન્સ્ડ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત જટિલ વાયર્ડ નેટવર્ક્સ પર નિર્ભર છે. "જો કે, કુદરતી આફતો અને યુદ્ધ જેવી આપત્તિજનક ઘટનાઓ અંતર્ગત માહિતી અને કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિક્ષેપિત કરીને આ પેમેન્ટ સિસ્ટમને અસ્થાયી રૂપે અનુપલબ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે," રિઝર્વ બેંકે વધુમાં જણાવ્યું કે, આવી મુશ્કેલીભરી અને અસ્થિર પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું સમજદારીભર્યું છે.